ગુલાબ પ્રેમ અને રોમાંસનું પ્રતીક છે અને સ્ટેજ ફૂલ ડેકોરેશનને એક ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. સ્ટેજ પર ન્યૂનતમ પ્રોપ ઉમેરો અને તમારી પાસે ફોટોગ્રાફ્સ માટે યોગ્ય સેટિંગ છે જે જીવનભર તમારી સાથે રહેશે. રિસેપ્શન સ્ટેજ ડેકોરેશન તરીકે ગોલ્ડ ડ્રેપ્સ સ્ટેટમેન્ટ પ્રોપ્સ સાથે ભવ્ય છતાં ભવ્ય સ્ટેજ ડેકોર જે પેનેચેને વ્યાખ્યાયિત કરે છે. જો ગ્રેસ અને ગ્રાન્ડ બંને તમારી પસંદગી છે, તો એવા સ્ટેજ ડેકોરેશનની પસંદગી કરો જેમાં સોના અનેરંગેલું ઊની કાપડની કલર પેલેટ હોય. બેકડ્રોપમાં નરમ પીળી લાઇટ્સ, ફૂલોનો સંકેત, અને એક સમયે કલાત્મક અને રોયલ બેઠક તમારી પાસે એક સ્ટેજ છે જે તમારા ફોટોગ્રાફર પ્રશંસા કરશે. સ્ટેજ ડેકોરેશન એક દિવસના લગ્ન માટે યોગ્ય છે. એક દિવસના લગ્નની સાદગી છે કે તેને ખૂબસૂરત દેખાવાની જરૂર નથી. જો તમારી વેડિંગ પાર્ટી જ્યારે સૂર્યોદય થવાનો હોય ત્યારે થઈ રહ્યો હોય, તો રિસેપ્શન સ્ટેજ ડેકોરેશન માટે સફેદ ડ્રેપ્સ પર સિંગલ ટોન્ડ ફૂલો, ન્યુટ્રલ ટોન્ડ પલંગ અને મોટા ફૂલોના ગુલદસ્તો પસંદ કરો. તમારા મોટા દિવસે સ્ટેજ ભવ્ય હશે અને ચિત્રો એકદમ ભવ્ય હશે. ફૂલોના મંડપની મધ્યમાં બે પરંપરાગત ખુરશીઓ મૂકવામાં આવી છે. સ્ટેજ અને મંડપની સંયુક્ત ગોઠવણી આપણા બધાના હૃદયમાં છે. તમારા મનપસંદ ફૂલોના સંયોજનને પસંદ કરો અને સ્ટેજ પર સમારંભ માટે જરૂરી અન્ય લોકો માટે નાની બેઠક ઉમેરો અને તમારી પાસે કંઈક નાજુક છતાં ભવ્ય છે. અને, જો તમારી પાસે તેમાં ઉમેરવા માટે ફ્લાવર બેડ પાંખ હોય, તો તે ફક્ત તેને વધુ સારું બનાવશે. છબીઓ સાથે તમારા ઘરના પ્રવેશ માટે ગ્રેનાઈટ નેમ પ્લેટ ડિઝાઇન, પ્રેરણા માટેની છબીઓ સાથે તમારા ઘર માટે ફ્લાવર પિક્ચર આઇડિયા, લવલી ઈમેજીસ સાથે ગાર્ડન લેન્ડસ્કેપ ડીઝાઈન આઈડિયાઝ, તમારા ઘર માટે ભારતીય વેડિંગ થીમ ડેકોર આઈડિયાઝ અને મેડ ઇન હેવન લેવિશ થીમ્સ, વાસ્તુ હોમ ડેકોર શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુખી ઘર માટે વાસ્તુ ટિપ્સ, બેડરૂમની દિવાલો માટે જાંબલી બે રંગનું મિશ્રણ, ઇમેજ ગેલેરી સાથે ડિઝાઇન પ્રેરણા, તમારા આંતરિક માટે અદભૂત નેવી બ્લુ રંગ સંયોજનો, એક સફેદ લગ્ન સ્ટેજ શણગાર ન્યૂનતમ ફૂલો સાથે લગ્ન માટે એક ભવ્ય સફેદ સ્ટેજ શણગાર જો ત્યાં એક રંગ છે જેની સાથે તમે ક્યારેય ખોટુંકરી શકો, તો તે સફેદ છે. તેને તાજા ફૂલો સાથે જોડો અને ઘણાં બધાં લીલા ઉમેરો અને અહીં એક સ્ટેજ છે જે તમને ઘણી બધી ખુશામત આપશે. કેટલીક ક્લાસિક ખુરશીઓ અને ન્યૂનતમ વાઝ ચલાવો અને ત્યાં એક સુંદરતા છે જે તેસમયે સરળ અને આકર્ષક છે.